ઠીક છે, અહીં કેટલીક સાવચેતીઓ છે જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. વ્યવસાયિક પ્રગતિ અથવા ઝડપી નાણાકીય લાભ મેળવવા માંગતા લોકો માટે ઘર નંબર અંકશાસ્ત્રને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ગણવામાં આવતો નથી. જે લોકો પહેલાથી આર્થિક રીતે સુરક્ષિત છે અને જેઓ બચત કરવાની કળા જાણતા હોય છે, તેઓ ઘર નંબરના અંકશાસ્ત્ર મુજબ ઘરમાં વધુ ખુશ રહેશે. નંબર છ ઘરના રહેવાસીને કરુણા આપવાનું વલણ ધરાવે છે, કરુણા જે થોડી વધારે હોઈ શકે છે. ઘર નંબર અંકશાસ્ત્ર અનુસાર, રહેવાસીઓ બલિદાન તરફ ઝુકાવ કરશે. તેથી જો તમે અહીં રહેતા હોવ, તો ખાતરી કરો કે તમે તમારા પોતાના કલ્યાણ માટે દરરોજ થોડો સમય ફાળવો છો. યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો અથવા તમારા જીવનમાં આત્મ-પ્રેમ લાવવા માટે થોડો સમય ગાર્ડલિગ કરો. ઘર નંબર અંકશાસ્ત્ર માટે તમારે સર્વ-પ્રેમની પ્રેક્ટિસ કરવામાં સમય પસાર કરવો જરૂરી છે. હાઉસ નંબર ન્યુમેરોલોઝી અને જણાવે છે કે નાણાંકીય ક્ષેત્રે કામ કરતા લોકો નંબર છના મકાનમાં રહેવું જોઈએ નહીં. ઘરની શક્તિશાળી હ્રદય શક્તિ નો આવા વ્યક્તિઓ માટે અહીં શાંતિથી રહેવું મુશ્કેલ બનાવશે, અને પરિવારમાં પૈસાની મુશ્કેલીઓ તરફ દોરી જશે. ઘરમાં ફક્ત તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને એકાંતિક બનવું ખૂબ સરળ છે. તમારી જાતને ગ્રાઉન્ડ રાખવા અને ઉર્જાના સકારાત્મક પ્રવાહને જાળવી રાખવા માટે, ઘર નંબર અંકશાસ્ત્ર સૂચવે છે કે સમયાંતરે લોકોને ઘરે રાખો. ન્યુમેરોલોજીમાં ઘર નંબર છની વિશેષતાઓ. ઘર નંબર કુટુંબ, સંબંધો અને ઘરની લાગણી વિશે છે. અહીં હાઉસ નંબર છની કેટલીક વિશેષતાઓ છે. ઘર નંબર છમાં રહેતા લોકો સૌથી વધુ સર્જનાત્મક હોય છે. ઘર લોકોની સુમેળભરી બાજુ બહાર લાવે છે. ઘરના સભ્યો સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક વાતાવરણ પસંદ કરે છે. ઘરોમાં પરંપરાગત ઘરોનો વાઇબ હોય છે. ઘર નંબર છ તમને કેવી રીતે અસર કરે છે? જો તમારો લાઈફ પાથ નંબર પણ છ છે તો ઘર નંબર છની અસર તમારા જીવન પર ઊંડી રહેશે. લાઈફ પાથ નંબર છ ધરાવતા લોકો ઘરના સર્જનાત્મક વાતાવરણ તરફ આકર્ષિત થશે. સંખ્યા ચોક્કસ લાગણીઓને વધારવા માટે જાણીતી છે. જો કોઈ વ્યક્તિ નકારાત્મક લાગણીઓને આકર્ષિત કરે છે અથવા તેને આશ્રય આપે છે, તો ઘરમાં રહેતા, નંબર છ લોકોમાં તે લાગણીઓને વધારી શકે છે. ઘર નંબર છ તમારા સંબંધો અને પ્રેમને સકારાત્મક અસર કરે છે, કારણ કે તે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપે છે. તે ખાસ કરીને નવા પરિણીત યુગલો માટે મહાન છે. ઘર નંબર છની ઉર્જા પણ પ્રેમ અને સાથને આકર્ષવામાં મદદ કરે છે. સારાંશ. ઘર નંબર અંકશાસ્ત્ર અંતરિક્ષની પ્રભાવશાળી હૃદય શક્તિઓ માટે આભાર, ઘર નંબર અંકશાસ્ત્ર લોકોને ઘણા પ્રેમ અને કરુણાથી આશીર્વાદ આપે છે. તે તમારા કૌટુંબિક જીવનમાં